ભાવનાત્મક હૃદયનું પ્રતીકવાદ આજે પણ સહન કરે છે. જો આપણે લોકોને પૂછો કે કઈ છબી તેઓ સૌથી વધુ પ્રેમ સાથે જોડાય છે, ત્યાં કોઈ પ્રશ્ન નથી કે વેલેન્ટાઇન હૃદય યાદીમાં ટોચનું હશે. હૃદય આકાર, જેને કાર્ડિયોઇડ કહેવાય છે, પ્રકૃતિમાં સામાન્ય છે. તે પાંદડામાંથી મળી આવે છે. ઘણા છોડના ફૂલો અને બીજ, સિલ્ફિયમ સહિત જેનો ઉપયોગ જન્મ નિયંત્રણ માટે કરવામાં આવ્યો હતો મધ્ય યુગમાં અને કદાચ આ કારણ છે હૃદય સંકળાયેલ બની ગયું સેક્સ અને રોમેન્ટિક પ્રેમ સાથે. કારણ ગમે તે હોય, પેઇન્ટિંગ્સમાં હૃદય દેખાવા લાગ્યા. સમય જતાં ચિત્રો લાલ રંગનો રંગ થયો, લોહીનો રંગ, ઉત્કટ પ્રતીક. રોમન કેથોલિક ચર્ચા માં હૃદયનો આકાર જાણીતો બન્યો ઈસુના સેક્રેડ હાર્ટ તરીકે. કાંટાથી શણગારેલું અને અલૌકિક પ્રકાશ ઉત્સર્જન, તે સન્યાસી પ્રેમનો સંકેત બની ગયો. હૃદય વચ્ચે આ જોડાણ અને પ્રેમ આધુનિકતાનો વિરોધ કરે છે. જ્યારે બાર્ને ક્લાર્ક, નિવૃત્ત દંતચિકિત્સક અંતિમ તબક્કામાં હૃદયની નિષ્ફળતા સાથે પ્રથમ કાયમી પ્રાપ્તમાં યુટાહમાં કૃત્રિમ હૃદય તેમની પત્ની ઓગણચાલીસ વર્ષ અહેવાલો મુજબ ડોકટરોને પૂછ્યું, "શું તે હજી પણ મને પ્રેમ કરી શકશે?" આજે આપણે જાણીએ છીએ કે હૃદય પ્રેમનો સ્ત્રોત નથી. અને હજી વધુ અને વધુ અમે સમજવા આવ્યા છે કે હૃદય વચ્ચે જોડાણ અને લાગણીઓ ખૂબ જ ઘનિષ્ઠ છે. હૃદય આપણી લાગણીઓને ઉત્પન્ન કરી શકે નહીં, પરંતુ તે તેમના માટે ખૂબ જ જવાબદાર છે. એક અર્થમાં આપણા ભાવનાત્મક જીવનનો રેકોર્ડ અમારા હૃદય પર લખાયેલ છે. ભય અને દુખ ઉદાહરણ તરીકે, ગહન હૃદયની ઇજા થઈ શકે છે. ચેતા કે જે બેમાન પર નિયંત્રણ કરે છે ધબકારા જેવી પ્રક્રિયાઓ તકલીફ અનુભવી શકો છો અને અયોગ્ય ટ્રીગર લડત અથવા ફ્લાઇટ પ્રતિસાદ જે રક્ત વાહિનીઓને સંકુચિત કરવા માટે ટ્રિગર કરે છે. સપડાયેલું હૃદય અને બ્લડ પ્રેશર વધવા માટે નુકસાન પરિણમે છે. બીજા શબ્દોમાં તે વધુને વધુ સ્પષ્ટ છે કે અમારા હૃદય અસાધારણ છે. આપણી ભાવનાત્મક પ્રણાલી પ્રત્યે સંવેદનશીલ, અલંકારિક હૃદય માટે જો તમે કરશો. હાર્ટ ડિસઓર્ડર છે પ્રથમ લગભગ બે દાયકા પહેલા માન્યતા આપી હતી જેને "ટાકોત્સુબો કાર્ડિયોમાયોપથી" કહે છે અથવા "તૂટેલા હાર્ટ સિન્ડ્રોમ" જેમાં હૃદય તીવ્રપણે નબળું પડે છે. તીવ્ર તાણ અથવા દુખના જવાબમાં જેમ કે રોમેન્ટિક બ્રેકઅપ પછી અથવા કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ. આ ચિત્રો બતાવે છે તેમ મધ્યમાં ઉદાસી હૃદય ખૂબ જ અલગ દેખાય છે ડાબી બાજુ સામાન્ય હૃદય કરતાં. તે સ્તબ્ધ દેખાય છે.